દિલ્હી પોલીસ તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શુક્રવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની સુપ્રીમ કોર્ટની બેંચને ખાતરી આપી હતી કે એફઆઈઆર "આજે જ નોંધવામાં આવશે" તે પછી બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. દરમિયાન કુસ્તીબાજો જેઓ એપ્રિલથી જંતર-મંતર ખાતે ચીફ સામે વિરોધ કરી રહ્યાં છે, તેઓએ કહ્યું કે જ્યાં સુધી સિંહની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમની ધરણા ચાલુ રાખશે. "આ જીત તરફનું અમારું પ્રથમ પગલું છે, પરંતુ વિરોધ ચાલુ રહેશે," ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે કહ્યું. સિંઘ સામે એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસને નિર્દેશ માંગતી સાત મહિલા કુસ્તીબાજોની અરજી સાંભળીને, ટોચની અદાલતે પોલીસ કમિશનરને સાત અરજદારોમાંથી એક સગીરને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો. શુક્રવારની ઘટનાઓ ચાર દિવસ પછી આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ મોકલીને કહ્યું હતું કે મામલો "ગંભીર" છે અને વિચારણા જરૂરી છે. એપ્રિલના રોજ દિલ્હી પોલીસે બેંચને કહ્યું હતું કે જાતીય સતામણીના આરોપો પર એફઆઈઆરની નોંધણી સાથે આગળ વધે તે પહેલાં તેણે કેટલીક પ્રારંભિક તપાસ કરવાની જરૂર છે. તેણીએ કહ્યું કે ટોચની અદાલતમાં દિલ્હી પોલીસની ખાતરી પછી જંતર-મંતર પર આંદોલનનો ચહેરો વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લડાઈ સમાપ્ત થઈ નથી. "આ લડાઈ માત્ર એફઆઈઆર દાખલ કરાવવાની નથી. આ લડાઈ ન્યાય મેળવવાની છે, તેને સજા કરવા તેને જેલના સળિયા પાછળ મોકલવા અને તેની પાસેના તમામ હોદ્દા પરથી તેને દૂર કરવા માટે છે," ફોગાટે કહ્યું કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ દિલ્હી પોલીસ પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે.